તમારા ઘરમાં એક્વાર કલરનો સમાવેશ કરવાની એક સરળ રીત છે કે રૂમને શાંત કરતા રંગના શેડ્સમાં રંગવો. સંદર્ભ તરીકે ઉપર શેર કરેલી છબીનો ઉપયોગ કરો અને તમારા બેડરૂમની દિવાલોને એક્વા કલર કોમ્બિનેશનમાં રંગો અને તમારી જગ્યાની શાંતિ અને શાંતિનો આનંદ લો. તમારા રૂમમાં રંગ રાખવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થશે અને તે આસપાસના વાતાવરણને શાંતિપૂર્ણ અને કેવી રીતે રાખશે, તે તમારી સાથે પડઘો પાડતા કેટલાક કલાકૃતિઓ ઉમેરો, કેટલીક સુગંધિત મીણબત્તીઓ પ્રગટાવો, અને તમારા પલંગને કેટલીક તાજી ચાદરથી ઢાંકોઅને તમારી પાસે એક રૂમ છે જે સ્થાઈ બીજા સ્થા સ્થાને છે. હવે અમને કહો, શું તમે તેને પ્રેમ નહીં કરો? મેચિંગ ડ્રેપ્સ સાથે એકલા કલર બેડ ડ્રોઅર્સ, રગ અને ડ્રોપ્સની છાતી સાથે મેળ ખાતો એક્વા કલર બેડ સરળ અને ભવ્ય. જો તમારી પાસે મોટો અથવા નાનો બેડરૂમ હોય તો વાંધો નથી. એક્વા કલર તમામ પ્રકારના રૂમમાં સારી રીતે જાય છે, જ્યાં સુધી શેડને વધારવા માટે પુષ્કળ કુદરતી પ્રકાશ હોય. જો તમારા બેડરૂમની દીવાલો એક્વામાં રાખવી એક અતિ અતિશય વિચાર જેવું લાગતું હોય, તો તમે રૂમના ફર્નિ શિંગમાં શેડનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, ઉપરની છબીની જેમ છાતીની જેમ બેડ એક્વા ટોનમાં છે. ફર્નિચર સાથે મેળ ખાતી ડ્રેપ્સ અને ગાદલા છે જે એકસાથે મૂકવામાં આવે ત્યારે સારી રીતે સંતુલિત અને શાંત રૂમ બનાવે છે. સફેદ અને એક્વા કલર કોમ્બિનેશન બેડ વિટકોરિયન શૈલીના હેડબોર્ડ સાથે સુંદર એક્વા કલર કોમ્બિનેશન બેડ. તમારી જગ્યામાં માત્ર એક્વા કલરનો સંકેત પસંદ કરવો શ્રેષ્ઠ છે. જો જગ્યા તમારે તમારો બેડરૂમ છે, તો તમે સફેદ અને એક્વા કલર કોમ્બિનેશન બેડ પસંદ કરીને એક્વાનો ડૅશ મેળવી શકો છો. હેડબોર્ડ મ્યૂટ કરેલ એક્વા ટોન હોઈ શકે છે જ્યારે બાકીનો પલંગ મોહક સફેદ હોઈ શકે છે જેમ કે ઉપરની શાર્ડ ઈમેજમાં દર્શાવવામાં આવ્યું છે. વિક્ટોરિયન શૈલીનો પલંગ ડિઝાઇનને અનુકૂળ છે અને તમે તમારા બાળકના રૂમમાં પલંગ રાખવાનું પસંદ કરી શકો છો. એક્વાના શાંત ટોન તેમને ગ્રાઉન્ડ રાખશે કારણ કે તે બાળકોને સારી રીતે ઊંઘવામાં મદદ કરે છે. એક્વા રંગને તમારા બેડરૂમનો ભાગ બનાવવાની એક સૂક્ષ્મ છતાં અસરકારક રીત છે કે નાની વિગતોમાં શેડને ઉપયોગ કરવો. કુશન, આર્ટવર્ક, ઘરની સજાવટની વસ્તુઓ અથવા અરીસાઓ માટેની ફ્રેમ પણ. તેને નાની વસ્તુઓમાં ઉમેરવાનું એક ઉત્તમ ઉદાહરણ ઉપરની છબીમાં છે. જેમ તમે જોઈ શકો છો, દિવાલ પર એક જટિલ કોતરવામાં આવેલ એક્વા મિરર મૂકવામાં આવ્યો છે.